શું શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે તો થઈ જજો સાવધાન! આનાથી આઠ લોકોને નવું જીવન મળ્યું. પીયુષભાઈનું હ્રદય સહિતાના અંગો અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. વેલંજાના રામાવટિકાના રહેવાસી પીયૂષ રામકૃષ્ણ વ્યાસે રત્નકલાકાર હતા. રાજ્યમાં આવી ઘટના પહેલીવાર છે જ્યારે એક જ વ્યક્તિના ઘણા બધા અંગો એક સાથે દાન કરવામાં આવ્યા છે. એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની માં મોકલવામાં આવશે. દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત નજીક વેલંજા ખાતે આવેલી રામવાટીકામાં રહેતા પીયુષ નારાયણભાઈ માંગુકીયા મૂળ ભાવનગર જિલ્લાના માળવાય ગામના વતની હતી. રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે દસ કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. ઘટના સ્થળે હજાર લોકોએ પિયુષને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં ન્યુસર્જન ડૉક્ટર હેસમુખ સોજીત્રાએ મગજમાં સંગ્રહિત લોહીની સારવાર કરી. સોજીત્રાની ટીમે પિયુષને બ્રેનટ જાહેર કર્યો હતો. ડોનેટ લાઇફ સોસાયટીએ પિયુષના પિતા નારાયણભાઇ અને અન્ય સભ્યોને અંગદાન કરવા સમજાવ્યા. હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉક્ટર ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉક્ટર કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર જયદીપ હીરપારે હીરપરાએ પીયુષને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારે અંગદાનની સેમ સંમતિ આપી હતી. પીયુષનું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં બોરસદ ના ઓગણીસ ઓગણચાલીસ વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. મુંબઇની એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં ચૂમાળીસ વર્ષીય વ્યક્તિને ફેફસાંનું પ્રત્યારોપણ કરાયું હતું. આઈ. કે. ડી. આર. સી., અમદાવાદ ખાતે ચાર કિડની, યકૃત અને સ્વાદુપિંડનું જુદા જુદા ચાર દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયું હતું. આંખો લોકપ્રિય આઇ બેંકને આપવામાં આવી હતી.